સુંદર ગુલદસ્તોથી ઘેરાયેલી વૈભવી બેઠક, પૃષ્ઠભૂમિ તરીકે એક જટિલ રૂપ અને નવા લગ્નના ચહેરા પર પ્રકાશની ઝબૂકતી સ્ટેજની સજાવટ લક્ષ્યો છે. તમારા લગ્નના દિવસે ડ્રેપ પ્લે સરળ સ્ટેજ ફૂલ શણગાર જે લાવણ્ય દર્શાવે છે આના જેવું સ્ટેજ ડેકોરેશન બેકગ્રાઉન્ડમાં શાંતિથી નીચું મૂકે છે છતાં ગ્લેમ કપલને ઢાંકી દેતા સુંદર દેખાવાનું કાર્ય અસરકારક રીતે કરે છે. ડ્રેપ્સ એક નાટક ઉમેરે છે જે સૂક્ષ્મ છે અને માત્ર ચિત્રોને સુંદર બનાવવા માટે પૂરતું છે અને ટોચ પર નાના કલગીનું માથું માત્ર એક ગર્ભિત વશીકરણ ઉમેરે છે. બોલ્ડ અને વાઇબ્રન્ટ લગ્ન સ્ટેજ શણગાર લગ્નના રંગબેરંગી સ્ટેજની સજાવટ જે આસપાસની દરેક વસ્તુને ખુશખુશાલ બનાવે છે. લગ્નો માટે સ્ટેજ સજાવટના વિચારો પ્રકૃતિમાં એકવિધ હોવા જરૂરી નથી. વિવિધ રંગો સરંજામમાં મુક્ત ઉત્સાહ ઉમેરવા માટે એકસાથે આવે છે જે મહેમાનોને સરળતાથી આકર્ષિત કરે છે. જો તમારી ભાવનાને પોપ ઓફ કલર ગમતો હોય, તો આના જેવી બોલ્ડ અને વાઇબ્રન્ટ થીમ માટે જાઓ કે જે ફક્ત તમારી સાથે પડઘો પાડે છે પણ છટાદાર પણ છે. તમને હવે લગ્નના વિવિધ સ્ટેજ ડેકોરેશનના પ્રકારો વિશે વાજબી ખ્યાલ આવી ગયો છે. તમે વિકલ્પો જોવાનું શરૂ કરો તે પહેલાં તમે તમારા સ્ટેજ ડેકોરેશનનો ભાગ બનવા માંગતા હો તે વસ્તુઓની એક ચેકલિસ્ટ તૈયાર કરો અને તેમાં તમારું બજેટ સામેલ કરવાનું ભૂલશો નહીં. તમને ટૂંક સમયમાં પસંદગી માટે સંકુચિત કરવામાં મદદ કરશે અને ઉપલબ્ધ વિકલ્પોના ટનથી તમને મૂંઝવણમાં મૂકશે નહીં. અમે આશા રાખીએ છીએ કે તમારા લગ્નના દિવસને યાદગાર દિવસ બનાવવા માટે તમને લગ્નના સ્ટેજ ડેકોરેશનના વિચારો માટેની અમારી ઝડપી માર્ગદર્શિકા ગમશે. હમણાં માટે, જ્યારે તમે રિસેપ્શન સ્ટેજ ડેકોરેશન અથવા મેરેજ સ્ટેજ ડેકોરેશન પસંદ કરી રહ્યાં હોવ ત્યારે તેને હાથમાં રાખવા માટે ભાગને બુકમાર્ક કરો. લગ્ન થીમ સજાવટ વિચારો, ઓછા બજેટના લગ્ન સજાવટના વિચારો, કપલ બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ, ભાવનાપ્રધાન બેડરૂમ વિચારો, લગ્ન માટે વાસ્તુ ટિપ્સ, યુગલો માટે સૂવાની દિશા, હલ્દી સ્ટેજ શણગાર, વર્ષગાંઠ સુશોભન વિચારો, પેસ્ટલ પેઇન્ટ રંગ વિચારો. તમારા ઘરમાં એક્વા કલરનો ઉપયોગ કરી શકાય તેવી રીતો. એક્વા કલર કોમ્બિનેશન શાંત અને નિર્મળ, એક્વા કલર યુવાની અને સ્વપ્નશીલતાની ભાવના બનાવવાની રીત ધરાવે છે. કેટલીક વાર ઘરની સજાવટ અથવા આંતરિક વસ્તુઓની વાત આવે ત્યારે બોલ્ડ પસંદગી તરીકે ગણવામાં આવે છે. એક્વા સદીઓથી ઘરોનો એક ભાગ છે. જ્યારે અમુક રંગો એક્વા કલર કોમ્બિનેશનનો એક ભાગ હોય છે, ત્યારે તેઓ એવી જગ્યા બનાવી શકે છે જે મજાની અને વિલક્ષણ હોય અને સમગ્ર સૌંદર્ય શાસ્ત્રને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે.